આદર કે અનાદર? તું સાઈડ માં ખસ મારે ક્રિકેટ રમવા તકલીફ પડે છે આ શબ્દો છે માત્ર ચાર વર્ષ ના બાળક ના. આ બાળક ને તું અને તમે કહેવાનો ભેદ નથી આવડતો, મને એમ કે નાનું બાળક છે કોણ ઝઘડો કરે એટલે હું ખસી ગયો. પણ દિલ માં બહું જ દુઃખ થયું, આજની નવી આવનારી પેઠી ખુબ જ હોશિયાર છે માન્યા કે, બધું ઝડપીથી જ શીખી લે છે, પરંતુ એનો મતલબ એવો કદાય નથી કે એમની ઉમર થી મોટા દરેક વ્યક્તિ ને અનાદર થી બોલાવે? આ સંસ્કાર આપવામાં એમના માતા પિતા ની ભૂલ છે. મોટા વ્યકતિ સાથે એકાદરવાર ઘટના બને તો જતું કરી નાખે પરંતુ જયારે બાળકો દ્વારા થતો આ અનાદર નિત્યક્રમ બની જાય પછી કોઈ પણ વ્યક્તિ પોતાના ગુસ્સા ને કાબુ માં રાખે એ ખુબ જ મોટી વાત છે. માતા તથા પિતા આ બંને વ્યક્તિ એક બાળક ના ઘડતર માં એક જરૂરી કલાકાર તરીકે કાર્યરત છે. તેમનું કરેલું વર્તન નાના બાળક તરત જ શીખી લે છે, આપણા થી મોટી ઉમર ના દરેક વ્યક્તિને કેટલુંક માન આપવું કઈ રીતે અને ક્યાં ઉપનામ થી બોલવું, આ બધી જ માહિતી એ બાળક ને એના પરિવાર દ્વારા જ મળે છે. આમાં વાંક કોનો? એનો કે એના પરિવાર નો? જો આજકાલ ના છોકરા ઓ સ્માર્ટ છે? ફોન પણ ઝડપથી શીખી જાય છે તો માતા પિતાના આપેલા સંસ્કાર કેમ નથી શીખતા? આપણી સંસ્કૃતિ, આપણી પરંપરા એમાં તેમને કઈક વસ્તુની અડચણ આવી જાય છે. જો આજ નું બાળક છે તો આદર અને અનાદર કરવામાં કેમ થાપ ખાઈ જાય છે. આ બધું શીખડાવાની ફરજ તેના પરિવાર ની કે આખા ગામ ની? આજ ના માતા પિતા બાળકના દરેક શોખ પૂરા કરે છે પરંતુ માતા પિતા એ ભૂલી જાય છે કે આ બાળક ની જીદ છે કે શોખ? માતા પિતા પોતાના કામ માં એટલા વ્યસ્ત રહેવા લાગ્યા છે કે પોતાના જ બાળક ને પોતાની સાથે બેસાડીને એની ભૂલ વિશેની સાચી માહિતી પણ નથી આપતા, "બેટા આ તારી ભૂલ છે કાકા ને આમ ના બોલાવાય" આવું માત્ર એક વાર કહેવાથી બાળક ફરીથી એ ભૂલ ક્યારેય નહિ કરે, જયારે બાળક ચાલતા શીખે છે તો ઘણી વાર પડી જાય છે, ત્યારે તમે જ એને આધાર આપીને ઉભો કરો છો, તો જયારે એનાથી શબ્દ બોલાવામાં ભૂલ થાય તો તમે કેમ એ બાળક ને ટકોર નથી કરતા? આ કરવાથી ફરજ તમારી કે સમાજ ની? તમારા બાળકને ક્યાં વ્યક્તિ સાથે